ઈદ ઉલ ફિત્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો આજરોજ બુધવારે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરીક ભાઈ બહેનોને પવિત્ર ઈદ ઉલ ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. ઓછું પ્રદૂષણ કરનારા તથા પ્રદૂષણ બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર યોજના જાહેર કરવામાં આવશે. પર્યાવરણ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આજરોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કરાશે. જેને પગલે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બીટ એર પોલ્યુશન જાહેર કરવામાં આવ્યું છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. વિશ્વકપ આજ રોજ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ વિજય મેળવવાનું સપનું સાકાર કરવાની દિશામાં ટીમ ઈન્ડિયાની પહેલી કસોટી થશે. તે દ્વારા પર્યાવરણ જાળવણીના પ્રશ્નો અને સુરક્ષાની ચળવળને લોકોની ઝુંબેશ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ યોજનામાં ગુજરાત દેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય છે. પર્યાવરણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે આજથી સેલ્ફી વીથ સેપલિંગ અભિયાનનો આરંભ કર્યો છે. અને લોકોને હાથમાં છોડ રાખીને સેલ્ફી પડાવવા તથા તેને સામાજિક માધ્યમોમાં મૂકવા જણાવ્યું છે. ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે, પરંતુ મશીન વગરની નાનકડી હોડી વડે માછલી પકડી શકાશે. માછીમારી પ્રતિબંધ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર દસ જૂનથી પંદર ઓગસ્ટ બે હજાર ઓગણિસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિશ્વમાં વાયુ પ્રદુષણ સંબંધિત કારણોથી દર વર્ષે સિત્તેર લાખ લોકોના મૃત્યુ થાય છે. જ્યારે ડુ પ્લેસીસના સુકાનીપદ હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ સ્પર્ધાની તેની ત્રીજી મેચ રમશે. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ વર્લ્ડકપ બે હજાર ઓગણીસની તેની પહેલી મેચ રમશે, રમઝાન મહિનાના એકવીસ દિવસના પુરા થતું શવ્વાલ મહિનાનો ચાંદ દેખાતા રમઝાન મહિનો પૂર્ણ થયો છે. સાઉથમ્પટન ખાતેના ધ રોઝ બાઉલ સ્ટેડિયમ પર દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો થશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ મહોત્સવની ઉજવણીનું જે પ્રારૂપ નક્કી કરવામાં આવ્યું છે. તે અનુસાર જે તે તાલુકાના પ્રગતિશીલ કિસાનોના કૃષિ અનુભવોનું આદાન પ્રદાન કૃષિ તજ્ઞોનું માર્ગદર્શન પશુપાલન વિષયક વ્યાખ્યાનો અને પ્રશ્નોત્તરી તથા કિસાન ગોષ્ઠિ અને સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાના લાભોનું વિતરણ આ મહોત્સવના દિવસે કરાશે. પોરબંદર ખાતે કાર્યરત મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા બહાર પડાયેલી યાદી કહે છે કે, માછીમારી પ્રતિબંધનો ભંગ કરનાર યાંત્રિક હોડીનું લાયસન્સ રદ કરવા ઉપરાંત પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રગતિશીલ અને સફળ ખેડૂતોના અનુભવ અન્ય ખેડૂત સુધી પહોંચાડતો પરિસંવાદ યોજાશે. રાજ્યના તમામ તેત્રીસ જિલ્લામાં તાલુકા દિઠ એક સ્થળે કૃષિ મહોત્સવ તથા પશુમેળા યોજવાની જવાબદારી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી હસ્તકની સમિતિને સોપાઇ છે. સમુદ્રી જીવના પ્રજનનકાળને ધ્યાનમાં રાખી આવું ફરમાન બહાર પડાતું હોય છે.